ટાઇટલ જીતવું કે અસાધારણ શ્રેણી જીતવી એ ખૂબ જ સારું રહેશે. જોકે અમે આવી બાબતો વિશે વધુ પડતું વિચારીને પોતાની ઉપર દબાણ લાવવા માગતા નથી. દરેક કેપ્ટન જીતવા માંગે છે રોહિત શર્માએ કહ્યું કે દરેક કેપ્ટન ચેમ્પિયનશિપ જીતવા માંગે છે, તેથી એક કેપ્ટન તરીકે હું પણ તેનાથી અલગ નથી. મારે પણ ચેમ્પિયનશિપ જીતવી છે. તેથી જ તમે ચેમ્પિયનશિપ જીતવા માટે રમો છો. જ્યારે હું સુકાનીપદ છોડું ત્યારે જો હું એક કે બે ચેમ્પિયનશિપ જીતી શકું તો તે ખૂબ જ સારું રહેશે. ઓસ્ટ્રેલિયાટીમ ઇન્ડિયારોહિત શર્માસ્પોર્ટ્સ એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી ખસી જશે પાકિસ્તાન? શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે હાઇબ્રિડ મોડલને ફગાવ્યું એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી ખસી જશે પાકિસ્તાન? હવે સપ્ટેમ્બરમાં યોજાનારી આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી યજમાન પાકિસ્તાન હટી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના પ્રમુખ નજમ સેઠી દ્વારા પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ પ્રમાણે પાકિસ્તાન પોતાના ત્યાં એશિયા કપની ત્રણ-ચાર મેચોનું આયોજન કરવાનું હતું. જ્યારે ભારતની મેચો તટસ્થ સ્થળે રમાઇ રમાવાની વાત હતી. સુરક્ષાની ચિંતાને કારણે ભારતે પાકિસ્તાનના પ્રવાસે જવાનો ઇનકાર કર્યા બાદ આ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. જોકે હવે એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર યોજવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને ટેકો આપ્યો છે. મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ ના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો વર્ચ્યુઅલ રીતે અથવા સભ્યોની હાજરીમાં મળે છે તે હવે માત્ર એક ઔપચારિકતા છે. પરંતુ પીસીબીને હવે ખબર છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલના તેના પ્રસ્તાવને ટેકો આપી રહ્યા નથી. પીસીબી એશિયા કપનો બહિષ્કાર કરી શકે છે સૂત્રએ જણાવ્યું હતું કે સેઠી પહેલેથી જ તેની ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને સંબંધિત સરકારી અધિકારીઓના સંપર્કમાં છે. જેથી જો તેમને ઘરઆંગણે એશિયા કપની મેચોની યજમાની કરવાની તક ન મળે તો પાકિસ્તાનના વલણ પર ચર્ચા કરી શકાય છે વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી ટ્વેન્ટી સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ? ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે રમો અથવા ટૂર્નામેન્ટમાંથી હટી જાઓ. પાકિસ્તાન ન રમે તો પણ તેને એશિયા કપ જ કહેવાશે પણ બ્રોડકાસ્ટર પાકિસ્તાનની ગેરહાજરીમાં આ કરાર અંગે નવેસરથી વાટાઘાટો કરશે.